ગત મહિને રાજ્યના મંત્રીમંડળમાંથી બરતરફ કરાયેલા સચિન પાયલોટ અને વિશવેન્દ્રસિંહની બેઠક વ્યવસ્થામાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા શ્રી બોજેન વાંગજિંગ તેનભા મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારેઆજે ધ્વનિ મતથી વિશ્વાસનો મત જીતી લીધો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના ટેસ્ટ નેગેટિવ થતાં હોસ્પિટલમાંથી રાજા અપાઈ. રમતગમત મંત્રી કિરેન રિજિજુએ આજે દેશવ્યાપી સૌથી મોટી દોડ, ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનની શરૂઆત કરી કાયદાકીય બાબતોના મંત્રી શાંતિ ધારીવાલે રાજ્ય સરકાર વતી વિધાનસભામાં વિશ્વાસના મત માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેની પર ગૃહમાં ત્રણ ચર્ચા હાથ ધરાઈ હતી, શ્રી ધારીવાલે કહ્યું કે આજે આખા રાજ્ય અને દેશના લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે .બાસઠ ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં તેમની ઉત્સાહપૂર્ણ કાર્યવાહી બદલ અને ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં બહાદુરીભરી કાર્યવાહી માટે આઠ જવાનોને એવોર્ડ આપવામાં આવી રહ્યા છે .સરકારે વર્તમાન રોગચા ળાની પરિસ્થિતિ અને સામાજિક અંતરનાં ધોરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમમાં રમતવીરોને પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું છે. આત્મનિર્ભર ભારતની ઘોષણાને અનુસરીને સંરક્ષણ ઉત્પાદન વિભાગે સ્વદેશી પોર્ટલ શ્રુજન ડિફેન્સ ડોટ ડોટ ઈન વિકસાવ્યું છે .અદાલતે એમ કહ્યું હતું કે તેઓ વ્યક્તિગત આચરણમાં ન્યાયાધીશોની વિરુદ્ધ છે અને તેઓ ન્યાયના વહીવટમાં કોઈ અવરોધ ઊભો કરી શકે નહીં .સાત તા અગાઉ ભૂષણ દ્વારા તેમના બે ટ્વીટ્સનો બચાવ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો ભૂતકાળમાં પણ ફીટ ઈન્ડિયાએ લોકો સુધી તંદુરસ્તીનો સંદેશ આપવા ફિટ ઇન્ડિયા પ્લોગ રન અને ફીટ ઈન્ડિયા સાયક્લોથોન જેવા અનેક મોટા પાયે કાર્યક્રમો યોજ્યા છે .સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવ સો છવીસ પોલીસ જવાનોને મેડલ જાહેર થયા. સુપ્રીમ કોર્ટે એડવોકેટ પ્રશાંત ભૂષણને ન્યાયતંત્ર વિરુદ્ધ અપમાનજનકટ્વીટ બદલ અદાલતના તિરસ્કાર માટે દોષિત ઠેરવ્યા છે. કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે આમંત્રિતોને લાલ કિલ્લાના કાર્યક્ષેત્રમાં હોય ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરવા વિનંતી કરી છે .આ સાથે કોંગ્રેસની તાકાત હવે ઘટીને અઢાર થઈ ગઈ છે. અગાઉ કોંગ્રેસના પાંચ ધારાસભ્યો અને ભાજપના ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે અને અધ્યક્ષે અન્ય ચાર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. પચાસ નેશનલ રાજનાથ શ્રુજન પોર્ટલ ,સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે એક શ્રુજન પોર્ટલ શરૂ કર્યું છે જે ખરીદી માટેનું ઑનલાઇન પોર્ટલ છે .તેમાં વિક્રેતાઓને સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે તક પૂરી પાડે છે. પચાસ નેશનલ ત્રાસવાદી હુમલો, જમ્મુકાશ્મીરમાં આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે શ્રીનગર શહેરની હદમાં આવેલા નગગામ બાયપાસ વિસ્તારમાં આજે સવારે કેટલાક આતંકવાદીઓએ પોલીસ ઉપર અંધાધૂંધ ગોળીબાર ફાયરિંગ કરતાં બે પોલીસ કર્મચારી શહીદ થયા છે .સંરક્ષણમંત્રીએ ભારતીય ઉદ્યોગ ભાગીદારોને સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશીકરણ અને આત્મનિર્ભરતાની શોધમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા દર્શાવવા અને સક્રિય ભાગીદારી માટે હાકલ કરી હતી પોલીસે જણાવ્યું કે ત્રણ પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા મોત થયાં હતાં. એક વિટમાં તેમણે તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો .પચાસ નેશનલ સર્વોચ્ચ અદાલત ભૂષણ સુપ્રીમ કોર્ટે એડવોકેટ પ્રશાંત ભૂષણને ન્યાયતંત્ર વિરુદ્ધ અપમાનજનક ટવી બદલ અદાલતના તિરસ્કાર બદલ દોષિત ઠેરવ્યા છે.